ઘર માટે રસપ્રદ ઓણમ સજાવટના વિચારો હવે જ્યારે આપણે ઓણમ તહેવારનું મહત્વ અને ઈતિહાસ શીખ્યા છીએ, તો ચાલો આગળ વધીએ અને ઘર માટેના કેટલાક અદ્ભુત ઓણમ સજાવટના વિચારો જાણીએપ્રવેશદ્વાર પર ઓણમ પૂકલમ રંગોળી ડિઝાઇન કરો ઓણમ પૂકલમતહેવારની સજાવટનો સાર છે. પુકલમફૂલોની રંગોળીની હસ્તકલા છેઅને તાજા ફૂલો કુદરતી રીતે તહેવાર સાથે જોડાણ ધરાવે છે કારણ કે તે ખૂબ મહત્વ સાથે લણણીની ઉજવણી છે. પ્રવેશદ્વાર પર અથવા પૂજા એકમની આસપાસરંગોળી ડિઝાઇન જીવંત વાતાવરણ અને મુલાકાતીઓ અને અલબત્ત, રાજા બાલીનું ઉષ્માભર્યું સ્વાગત આપે છે. સર્પાકાર, પાંદડા અને ગણેશથી લઈનેઓમ અને કથકલી સુધી, પસંદગી કરવા માટે ઘણી ઓણમ પૂકલમ ડિઝાઇન છે. તમારી ઇન્દ્રિયોને સૌથી વધુ આકર્ષિત કરે અને તમારા ઘરના આંતરિક ભાગો સાથે સારી રીતે જાય તે પસંદ કરો. મોર ઓણમ પૂકલમ ડિઝાઇન સાથે ઘરના વાઇબ્રન્સને આમંત્રણ આપો કથકલી ફેસ ઓણમ પૂકલમ ડિઝાઇન સમૃદ્ધ, પરંપરાગત કેરળના વાઇબ્સ ગણેશ ઓણમ પૂકલમ ડિઝાઇન દૈવી લાગે છે અને ઘરમાં સમૃદ્ધિ લાવે છે પણ વાંચોમાટે સરળ રંગોળી ડિઝાઇન તમારા ઘર માટે યુગાદી શણગાર, યાદગાર ડી ડે માટે ઓછા બજેટમાં વેડિંગ સ્ટેજ ડેકોરેશન, જન્મદિવસની સજાવટની વસ્તુઓ હોવીજોઈએજન્મદિવસની સજાવટના સરળ વિચારો અને છબીઓ, લક્ષ્મી પૂજા ઉજવણી અને સજાવટના વિચારોદિવાળી લક્ષ્મી પૂજા ઘરે શણગાર, ઈમેજીસ સાથે ઘર માટે હોળી ડેકોરેશન આઈડિયાઝઅને થીમ હોળી શણગાર, ઘર માટે ઈદ સજાવટના વિચારોઈદ ઉલ ફિત્ર, તમારા ઘરને ઉત્સવની અનુભૂતિ કરાવવા માટે જન્માષ્ટમીના શણગારના વિચારો, તમારી ઓણમ સજાવટ માટે ઓનમ પૂકલમ ડિઝાઇન વિચારો, ફૂલોના માળાથી દરવાજાને સુંદર બનાવો તમારા ઘરના દરવાજા અને ખુલ્લી દિવાલોને શણગારવા માટે સુંદર ફૂલોની માળાનો ઉપયોગ કરો, જેને સામાન્ય રીતે તોરણ કહેવાય છે. તમે તાજા કેરીના પાન, મેરીગોલ્ડ અથવા જાસ્મીનમાંથી તોરણ બનાવીને મુખ્ય દરવાજા પર લટકાવી શકો છો. એવું માનવામાં આવે છે કેઘરમાં સૌભાગ્ય લાવે છે અને નકારાત્મક શક્તિઓને દૂર રાખે છે. ઉપરાંત, તમે થાંભલાઓ અથવા ગ્રિલ્સની આસપાસ ફૂલોના માળા લપેટીને ઓણમની ઉજવણી દરમિયાન પરંપરાગત સ્પર્શ સાથે તમારા મંડપ અથવા બાલ્કનીઓને પણ સુશોભિત કરી શકો છો. ઉત્સાહપૂર્ણ તહેવારની અનુભૂતિ માટે સુંદર મેરીગોલ્ડ તોરણો લટકાવો પ્રવેશ દ્વાર પર તોરણના સ્તરો લટકાવો અને પ્રવેશ ખૂણા પર ઓણમ પૂકલમ ડિઝાઇન વડે તેમની સુંદરતામાં વધારો કરો તમારા ઘરને દીવાઓ અને દીવાઓથી પ્રકાશિત કરો જગ્યાને પ્રકાશિત કરવીઓણમની સજાવટને પ્રકાશિત કરવાની એક સરસ રીત છે. દીવાઓ, તેલના દીવા અને સુગંધિત મીણબત્તીઓ પ્રગટાવીને તમારા ઘરને રોશની કરો અને તહેવારોના પ્રેમમાં આસપાસના વાતાવરણને ચમકવા દો. એવું કહેવાય છે કે રોશનીવાળા દીવા તમારા ઘરમાં સકારાત્મકતા લાવવામાં મદદ કરે છે. ઓણમની ઉજવણી દરમિયાન ઘરની સજાવટને સુંદર બનાવવા